પ્રસંગે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દરમિયાન હજારો ભક્તો પણ હાજર રહ્યા હતા. મંદિરના દરવાજા ખોલ્યા બાદ ભક્તોએ કેદાર ધામની મુલાકાત લીધી હતી. ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. જો તમે ઉત્તરાખંડ સરકારની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનકરાવ્યું હોય તો હરિદ્વારમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા જિલ્લા પ્રવાસન કેન્દ્ર પર જઈને શ્રદ્ધાળુઓ ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. કોરોના મહામારી બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા બાદ ભક્તોની સંખ્યામાં થયેલા વધારાથી ઉત્તરાખંડ સરકાર પણ ખુશ છે. ધાર્મિક પ્રવાસથી ઉત્તરાખંડ સરકારને સારી આવક થશે. તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામની મુલાકાત લઈ શકો છો જો તમે કેદારનાથ ધામની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. સેજલ વ્યાસના જણાવ્યા પ્રમાણે, ફુલોના ગોટાનો જથ્થો હજાર ફૂટ ઉપર લઈ જવા ખચ્ચરની મદદ લેવાઈ હતી. ફુલ લાંબા સમય સુધી તાજા રહી શકે છે. સોમવારથીઅમારી ટીમ અહીં ફુલોની સજાવટ માટે જોડાઈ ગઈ હતી.